ઓલા એસવન એરના તાજેતરના લોન્ચિંગ સાથે, એ સ્પષ્ટ છે કે ઓલા વિવિધ કિંમત શ્રેણીઓમાં અનેક વિકલ્પો સાથે પોતાને માર્કેટ લીડર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આગામી એસવન સાથે, બ્રાન્ડ એકસો પચ્ચીસ સીસી સેગમેન્ટના અન્ય મોડલ્સ સાથે સ્પર્ધા કરશે. ઓલા એસવનમાં ડિઝાઇન ફેરફારો એસવનની નવી આવૃત્તિમાં કેટલાક મહત્વપૂર્ણ ડિઝાઇન સુધારા કરવામાં આવ્યા છે. વર્તમાન એસવન મોડલ્સમાં આગળના ભાગમાં સિંગલ-ફોર્ક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. ઓલા દાવો કરે છે કે આ સસ્પેન્શન ભારતીય રસ્તાઓ માટે મજબૂત અને યોગ્ય છે. જોકે, સસ્પેન્શન ખરાબ થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને કેટલાક કિસ્સાઓમાં અકસ્માતો પણ થયા છે. આ સમસ્યાને દૂર કરવા માટે આગામી એસવનમાં એસવન પ્રો જેવી ડ્યુઅલ સસ્પેન્શન સિસ્ટમ આપવામાં આવી શકે છે. આ ચોક્કસપણે એક સારો ફેરફાર છે, જે નવા ખરીદદારોનો વિશ્વાસ વધારી શકે છે. જોકે, હાલના એસવન ગ્રાહકોને નવી ડિઝાઇનમાં અપગ્રેડ કરવાનો વિકલ્પ મળશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. જીપીએસસી ભરતી: દિવ્યાંગ ઉમેદવારો માટે છેલ્લો દિવસ જીપીએસસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે દિવ્યાંગ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. આ ભરતી હેઠળ કુલ એકસો સત્તાવીસ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. સામાન્ય ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ હતી. જોકે, દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી હતી. દિવ્યાંગ ઉમેદવારો હવે દસ ઓગસ્ટ બે હજાર તેવીસની રાત્રે બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ નોંધ આ જાહેરાત માત્ર દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે છે. માત્ર નિર્ધારિત પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરવી અને અન્ય ઉમેદવારોએ અરજી કરવી નહીં. ઉપર્યુક્ત ઉમેદવારો માટે જાહેરાતની અન્ય તમામ જોગવાઈઓ પંદર જુલાઈ બે હજાર તેવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મૂળ જાહેરાત મુજબ યથાવત રહેશે.